કિંગ ખાન છેલ્લા ચાર વર્ષથી મોટા પડદા પરજોવા મળ્યો નથી. અને તેથીજ દર્શકોની આંખો તેને જોવા માટે આતુર છે. આવી સ્થિતિમાં, થોડા દિવસોની રાહ જોયા પછી, શાહરૂખ એક નવા અવતાર અને સ્ટાઈલમાં થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. ભારતમાં નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મે રેકોર્ડ તોડવાનું પણ શરૂ કર્યું છે. પઠાણે એડવાન્સમા બુકિંગમાં કરોડોની કમાણી કરી હતી ને એડવાન્સ બુકિંગ પર નજર કરીએ તો ખબર પડે છે કે શાહરૂખ ખાનના ચાહકોને ફિલ્મ સાથે જોડાયેલા વિવાદોની કોઈ પરવા નથી. ચાહકો પહેલા જ દિવસે તેમના ફેવરિટ સ્ટારને થિયેટરમાં જોવા માટે આતુર છે. ના હિન્દી અને તેલુગુ વર્ઝનની ટિકિટ સૌથી વધુ વેચાઈ રહી છે. મેજર સિનેમા ચેઈન્સમાં ની એક લાખથી વધુ ટિકિટ વેચાઈ છે. આ સિવાય નું મહત્તમ એડવાન્સ બુકિંગ બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં કરવામાં આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, તેના પહેલા દિવસે ચાલીસ કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. હેપ્પી ન્યૂ યર પછી, શાહરૂખ ખાનની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોની યાદીમાં આવશે. પાછળ ગયા વર્ષે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' એ સારી કમાણી કરી હતી. બે હજાર બાવીસમાં હિટ થનારી આ ત્રીજી મોટી ફિલ્મ હતી. 'બ્રહ્માસ્ત્ર'ના એડવાન્સ બુકિંગને હરાવવા માટે હજુ છ દિવસ બાકી છે. ભારત ઉપરાંત વિદેશોમાં પણ નું એડવાન્સ બુકિંગ સારું ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા જોવા મળશે. હવે તો માત્ર પચીસ જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે. અનેક રેકોર્ડ તોડી કમાશે અધધ આટલા કરોડ. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ચાર વર્ષ પછી લીડ હીરો તરીકે વાપસી કરી રહ્યો છે. સેન્સર બોર્ડના સુત્રોએ કર્યો મોટો ધડાકો ગુજરાતમાં ફરી શરુ થયો ફિલ્મ 'પઠાણ'નો ઉગ્ર વિરોધ, અને બજરંગ દળે કરી તોડફોડ રીલીઝ પહેલા જ શાહરૂખ ખાનનો મોટો નિર્ણય, સલમાન અને કપિલ શર્માને લાગશે મરચા.ફિલ્મના વિરોધમાં મેદાનમાં ઉતર્યા સાધુ-સંતો, જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુએ કહ્યું. 'પહેલા જ દિવસે એ સાબિત કરી દીધું છે કે અવતાર પાર્ટ વનની જેમ આ ફિલ્મ પણ કમાણીના મામલે નવા રેકોર્ડ્સ હાંસિલ કરશે. જબરદસ્ત ઓપનિંગની સાથે જ એ પોતાના નામે એક વિશેષ સિદ્ધિ મેળવી છે. આ કલેક્શનના આંકડા સાથે અવતાર પાર્ટ ટુ એ માર્વેલ સ્ટુડિયોની ઘણી ફિલ્મોને કલેક્શનની બાબતમાં પહેલા જ દિવસે પાછળ રાખી દીધી.'